મોટા કદના ફર્નિચરને ખસેડતી વખતે તે ખાસ કરીને ઉપયોગી છે, અને તમારે તેને ગોઠવવા માટે જગ્યાની જરૂર છે. સૌંદર્ય શાસ્ત્ર અને અપીલ: પ્રવેશદ્વાર પરના ડબલ દરવાજા કેન્દ્રબિંદુ બનાવવામાં અને લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં મદદ કરી શકે છે. વિન્ડો સાથે જોડી, તેઓ સપ્રમાણ પેટર્ન બનાવે છે. નેચરલ લાઇટ્સ ડબલ એન્ટ્રી ડોર ઇન્સ્ટોલ કરવાથી તમને અન્વેષણ કરવાના વિકલ્પો મળે છે, જેમ કે વિન્ડો-સ્ટાઇલ ગ્લાસ અને ધાતુના દરવાજા સફેદ રંગમાં જે કોઈપણ ઘર માટે યોગ્ય છે. જગ્યાની જરૂરિયાત મુજબ ફિટ થઈ શકે છે જ્યાં દરવાજો ઇન્સ્ટોલ કરવાનો હોય તે જગ્યાની જરૂરિયાત મુજબ તમે સરળતાથી ડબલ દરવાજા ફિટ કરી શકો છો. વિકલ્પોની વિવિધતાઆ દરવાજા વિવિધ કદ, સામગ્રી અને ડિઝાઇનમાં ઉપલબ્ધ છે. ડબલ દરવાજા પરંપરાગત દેખાવનું આકર્ષણ આપી શકે છે, અને વિવિધ સામગ્રી સાથે જોડી બનાવીને, તે સમકાલીન પણ દેખાઈ શકે છે. ડબલ ડોર ડિઝાઇનનો સારાંશ તમારા મહેમાનો માટે યોગ્ય પ્રથમ છાપ બનાવવાની વાત આવે ત્યારે તમારા ઘરનો મુખ્ય દરવાજો મહત્વપૂર્ણ છે. તેથી, યોગ્ય ડબલ ડોર ડિઝાઇન પસંદ કરવામાં ખોટુંથાય તે માટે તમારા ઘરની એકંદર સજાવટને ધ્યાનમાં લેવાની ખાતરી કરો. તમે તમારા પ્રવેશદ્વારને તમારા સપનાનો દેખાવ આપવા માટે તમારી પસંદગીઓ અને જરૂરિયાતો અનુસાર વિવિધ સામગ્રી અને રંગોને મિક્સ અને મેચ પણ કરી શકો છો. દરવાજા પર વધુ મુખ્ય દરવાજાના હેન્ડલની ડિઝાઇન મુખ્ય દરવાજા ડિઝાઇન વિચારો લાકડાના મુખ્ય દરવાજાની ડિઝાઇન સાગના લાકડાના મુખ્ય દરવાજાની ડિઝાઇન લોખંડના મુખ્ય દરવાજાની ડિઝાઇન ડબલ ડોર ડિઝાઇન્સ તમારા આંતરિક માટે અદભૂત નેવી બ્લુ રંગ સંયોજનો નેવી-બ્લુ કલર વિશે કંઈક જાદુઈ છે. તેની નાટ્યાત્મક હાજરી અને ક્લાસિક દેખાવ તેને ઇન્ટિરિયર ડિઝાઇનર્સમાં પ્રિય બનાવે છે. તેના ઘેરા ટોન ઝડપથી ધ્યાન ખેંચે છે અને તેજસ્વી રંગોને પોપ થવામાં મદદ કરે છે. તેથીતેનો ઉપયોગ ઘણીવાર આધુનિક આંતરિકમાં થાય છે. પરંતુ નેવી-બ્લુ કલર જાજરમાન અને સર્વોપરી લાગે છે, તેમ છતાં તેનો વધુ પડતો ભાગ તમારા આંતરિક ભાગને અંધકારમય અથવા જબરજસ્ત બનાવી શકે છે. તેથી, તેને અન્ય રંગછટા સાથે જોડવાનું શ્રેષ્ઠ છે, ખાસ કરીને વિરોધાભાસી, જેથી કોઈપણ જગ્યા અથવા રૂમનો એકંદર દેખાવ સંતુલિત અને આકર્ષક હોય. બ્લોગ તમને યોગ્ય પસંદગી કરવા માટે માર્ગદર્શન આપશે. નેવી-બ્લુ કલર કોમ્બિનેશન તમને ગમશે અહીં નેવી-બ્લુ કલર કોમ્બિનેશન છે જે તમારા ઈન્ટિરિયરને સંપૂર્ણ નવા સ્તરે લઈ જઈ શકે છે. નેવી-બ્લુ રંગ સફેદ સાથે જોડીસફેદ અને નેવી-બ્લુ રંગનું મિશ્રણ કાલાતીત લાગે છે છબી સ્ત્રોત. સફેદ, જ્યારે નેવી-બ્લુ સાથે જોડવામાં આવે છે, ત્યારે કોઈપણ રૂમને ક્લાસિક અને સ્વચ્છ દેખાવ આપે છે. કલર કોમ્બિનેશન બ્લેક એન્ડ વ્હાઇટ કલર કોમ્બિનેશનની સિસ્ટર છે. સફેદ